જો તમે વાસ્તુ મુજબ દરવાજા માટે નેમ પ્લેટના નિયમોનું પાલન કરો તો એ સારી વાત છે કે કારણ કે નેમપ્લેટ મુખ્ય દરવાજા સાથે સારી રીતે ભળી જાય છે. વાસ્તુ મુજબ નેમ પ્લેટ માટે ગ્રે અને બ્લેકનું યોગ્ય મિશ્રણ ઉત્તમ છે. વાસ્તુ મુજબ નેમ પ્લેટઃ લાકડાના દરવાજા પર ગોલ્ડન નેમ પ્લેટમાં બ્રાઉન અને ગોલ્ડનનું મિશ્રણ ઘરના ઘણા ખરીદદારોને આકર્ષવા માટે એક આદર્શ વિચાર છે. અહીં સરળ પણ ભવ્ય દેખાતી નાની લંબચોરસ આકારની નેમ પ્લેટ ખૂબ પ્રભાવશાળી લાગે છે. અહીં લાઇટ મૂકવાનું યાદ રાખો અને વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત અનુસાર સારી ઉર્જા આકર્ષવા માટે દરરોજ ઘરનો આગળનો ભાગ સાફ કરો. લાકડાના દરવાજા સામે વાસ્તુ મુજબ ગોલ્ડન કલરની નેમ પ્લેટ: ઘરના ચળકતા બદામી રંગના લાકડાના આગળના દરવાજાને સજાવવા માટે પારદર્શક કાચની નેમ પ્લેટ બેસાડવી પણ સારો વિચાર છે. ફક્ત એ વાતનું ધ્યાન રાખો કે નેમપ્લેટ સારી રીતે પ્રકાશિત અને ધૂળ મુક્ત છે. અહીં કાચની નેમ પ્લેટની ડિઝાઇન મજબૂત મુખ્ય દરવાજા સાથે ખૂબ સારી રીતે ભળી જાય છે અને આ રીતે અન્ય લોકો માટે આકર્ષક દેખાવ બને છે. વાસ્તુ મુજબ પારદર્શક નેમ પ્લેટ: સફેદ દિવાલની સામે મેટલ નેમ પ્લેટ શાહી વાદળી અને શુદ્ધ સફેદનું મિશ્રણ ખરેખર જાજરમાન લાગે છે. અહીં શાહી વાદળી મુખ્ય પ્રવેશદ્વારની સફેદ સંલગ્ન દિવાલમાં નેમ પ્લેટ મૂકવાનો વિચાર ખરેખર પરફેક્ટ છે. બ્રાઉન વુડન બોર્ડર સાથેની સરળ પણ ભવ્ય આછા પીળી નેમ પ્લેટ વાદળી અને સફેદ રંગનાશાહી દેખાવ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે અને તેથી વાસ્તુ અનુસાર સારી છે. વાસ્તુ મુજબ મેટલ નેમ પ્લેટ ભવ્ય લાગે છે! વાસ્તુ મુજબ નેમ પ્લેટઃ પથ્થરની દિવાલ પર મોટી નેમ પ્લેટ ઘરના ટેક્ષ્ચર પથ્થરની દિવાલ કોઈપણ ઘરના માલિક માટે એક દુર્લભ પસંદગી છે. જો કે, દૂધિયું સફેદ લંબચોરસ આકારની નેમ પ્લેટ કંઈક નવું કરવાની વિશેષ અનુભૂતિ આપે છે. ઉપરાંત, સફેદ નેમ પ્લેટ દૂધિયું સફેદ દાદર સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે. તે વાસ્તુ મુજબ હોમ નેમ પ્લેટની પણ સારી પસંદગી છે. પથ્થરની દિવાલ પર વાસ્તુ મુજબ મોટી નેમ પ્લેટ : સાદી લંબચોરસ નેમ પ્લેટ તમારા ઘર અથવા ફ્લેટના આગળના દરવાજાને રંગવા માટે રંગ ડાર્ક ક્રીમ સારો વિકલ્પ છે. વાસ્તુ મુજબ દરવાજાના ઉપરના ભાગમાં નેમ પ્લેટ લગાવવાનું યાદ રાખો. જો તમે વાસ્તુશાસ્ત્રની ટીપ્સને અનુસરવા માંગતા હો તો હળવા પીળા રંગની નેમ પ્લેટને યોગ્ય રીતે મૂકવી જોઈએ અને તેને અડધી લટકેલી રાખવી જોઈએ. વાસ્તુ મુજબ સિમ્પલ-સ્ટાઈલિશ-એલિગન્ટ નેમ પ્લેટ: બ્લુ ગેટની બાજુમાં સફેદ નેમ પ્લેટ કોઈપણ ઘર